લોકોના મોતનું કારણ ગરમી હોવાનું કહેવાય છે. પરંતુ સ્થળ પર ગેરવહીવટ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે લાખો લોકો ઘણા કલાકો સુધી તપતા સૂર્યની નીચે ઉભા રહ્યા હતા. ઘણા લોકોએ ડિહાઇડ્રેશન અને બેહોશીની ફરિયાદ કરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્રના દૂરના વિસ્તારોમાંથી લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઉપરાંત મધ્યપ્રદેશ, કર્ણાટક અને ગુજરાતમાંથી પણ લોકો આવ્યા હતા. આયોજકો ના કરી શક્યા પૂરતી વ્યવસ્થા નવી મુંબઈના મેદાનમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. કાર્યક્રમ દરમિયાન હજારો લોકો ઉભા હતા. બેઠક વ્યવસ્થા હતી પણ ભીડની સામે હજુ જગ્યા ઘણી ઓછી હતી. કાર્યક્રમ જોવા માટે ઓડિયો અને વીડિયો પ્લેયર પણ લગાવવામાં આવ્યા હતા. ભીડને તડકાથી બચાવવા માટે આયોજકો પૂરતી વ્યવસ્થા કરી શક્યા નથી. શિંદેએ કહ્યું કે દરેક મૃતકના નજીકના સંબંધીઓને પાંચ-પાંચ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. તેમણે કહ્યું કેઘટનાને કારણે હોસ્પિટલમાં દાખલ થયેલા લોકોને મફત સારવાર આપવામાં આવશે. તેમની સારવારનો ખર્ચ રાજ્ય સરકાર પોતાની તિજોરીમાંથી ઉઠાવશે. મુખ્યમંત્રીએ અધિકારીઓને પણ નિર્દેશ આપ્યો કે જો દર્દીઓને વધારાની સારવારની જરૂર હોય તો તેમને વિશેષ હોસ્પિટલોમાં રીફર કરવામાં આવે. આગેવાનો ઘાયલોને મળ્યા હતા ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે અને નેતા અજિત પવાર એમજીએમ કામોથે હોસ્પિટલ પહોંચ્યા અને ખારઘરમાં મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ સમારંભ દરમિયાન બીમાર પડ્યા બાદ સારવાર લઈ રહેલા લોકોને મળ્યા. નેતા અજિત પવારે કહ્યું કે એવોર્ડ આપવા માટે બપોરનો સમય નક્કી કરવામાં આવ્યો છે. દરેક વ્યક્તિ જાણે છે કે એપ્રિલ મહિનામાં બપોરના સમયે કેટલી ગરમી હોય છે. એક મોટો અકસ્માત છે, અમે હોસ્પિટલમાં લોકોને મળ્યા છીએ.